તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં અલ્ટ્રાસાઉન્ડ પુષ્ટિ મળી જેની અમને પહેલાથી શંકા છે. તેનું હૃદય નબળું પડી ગયું હતું તેની સામાન્ય ક્ષમતા કરતાં અડધાથી ઓછી અને બલૂન કરી હતી ટાકોત્સુબોનો વિશિષ્ટ આકાર પરંતુ કોઈ અન્ય પરીક્ષણો ખોટી ન હતી. ક્યાંય ભરાયેલા ધમનીઓનું નિશાન નહીં. બે અઠવાડિયા પછી તેની ભાવનાત્મક સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી અને તેથી અલ્ટ્રાસાઉન્ડની પુષ્ટિ થઈ. ટાકોત્સુબો કાર્ડિયોમાયોપથી જોડવામાં આવી છે. ઘણી તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં જાહેર ભાષણ સહિત ઘરેલું વિવાદો, જુગારની ખોટ, પણ એક આશ્ચર્યજનક જન્મદિવસની પાર્ટી. તે પણ સંકળાયેલ છે વ્યાપક સામાજિક ઉથલપાથલ સાથે જેમ કે કોઈ કુદરતી આપત્તિ પછી. ઉદાહરણ તરીકે, એક ભારે ભુકંપે એક જિલ્લાને તબાહ કર્યો જાપાનના સૌથી મોટા ટાપુ પર સિક્સટી થી વધુ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા હતા. આ વિનાશની રાહ પર સંશોધનકારોએ શોધી કાદ્યું કે આ ઘટનાઓ ટાકોત્સુબો કાર્ડિયોમાયોપથી જિલ્લામાં ચોવીસ ગણો વધારો થયો ભૂકંપના એક મહિના પછી સમાન સરખામણીમાં એક વર્ષ પહેલાનો સમયગાળો. આ કેસોના રહેઠાણો નજીકથી સાથે સંકળાયેલ છે કંપનની તીવ્રતા. લગભગ દરેક કિસ્સામાં દર્દીઓ કેન્દ્રની નજીક રહેતા હતા. રસપ્રદ વાત એ છે કે ટાકોત્સુબો કાર્ડિયોમિયોપેથી ખુશીની ઘટના પછી પણ જોવા મળી છે. પરંતુ હૃદય દેખાય છે અલગ પ્રતિક્રિયા આપવા માટે. શા માટે જુદા જુદા ભાવનાત્મક અવરોધ વિવિધ કાર્ડિયાક ફેરફારો પરિણમે છે રહસ્ય રહે છે. પરંતુ આજે, કદાચ એક ઓડ તરીકે આપણા પ્રાચીન ફિલસૂફોને આપણે એમ કહી શકીએ કે લાગણીઓ હોય તો પણ આપણા હૃદયની અંદર સમાયેલ નથી, ભાવનાત્મક હૃદય ઓવરલેપ્સ તેના જૈવિક પ્રતિરૂપ, આશ્ચર્યજનક અને રહસ્યમય રીતે. અચાનક મૃત્યુ સહિત હાર્ટ સિન્ડ્રોમ્સ લાંબા સમય સુધી વ્યક્તિઓમાં અહેવાલ છે. તીવ્ર ભાવનાત્મક ખલેલ અનુભવી અથવા તેમના રૂપક હૃદયમાં ખળભળાટ. હાર્વર્ડ ફિઝિયોલોજિસ્ટ વોલ્ટર કેનનને "વૂડુ ડેથ" નામનું એક કાગળ પ્રકાશિત કર્યું જેમાં તેમણે વર્ણવેલ ભયથી મૃત્યુનાં કેસો જે લોકો માને છે તેઓને શ્રાપ આપવામાં આવ્યો હતો જેમ કે ચૂડેલ દ્વારા અથવા નિષિદ્ધ ફળ ખાવાના પરિણામે પરિણામ રૂપે. ઘણા કિસ્સાઓમાં પીડિત, બધી આશા ખોવાઈ જાય છે. સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ કેસોમાં સામાન્ય શું હતું? પીડિતની સંપૂર્ણ માન્યતા હતી કે બાહ્ય બળ હતી જે તેમના નિધનનું કારણ બની શકે છે અને જેની સામે તેઓ લડવા માટે સાક્ષ હિત ત હતા. આ નિયંત્રણનો અભાવ છે તોપ પોસ્ટ્યુલેટેડ, પરિણામ વિના મૂલ્યે શારીરિક પપ્રભાવિત જેમાં રુધિરવાહિનીઓ આવી ડિગ્રી માટે સંકુચિત લોહીનું પ્રમાણ તીવ્ર રીતે ઘટી ગયું, બ્લડ પ્રેશર ડૂબી ગયો.